પરંતુ સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. સીજેઆઈએ પૂછ્યું કે શું બંધારણને આ રીતે બદલી શકાય છે આ કેસની સુનાવણી દરમિયાન સીજેઆઈ કેન્દ્રના આ નિર્ણયથી ખૂબ જ નારાજ દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલી વખત આર્ટિકલ એએના ક્લાજ હેઠળ કેન્દ્રના અધિકારોનો ઉપયોગ કર્યો છે. તેમનો ઉદ્દેશ અમલદારોની બદલીઓને દિલ્હી સરકારના અધિકારમાંથી બહાર લઇ જવાનો છે. અમે જોઈશું કે તે ઠીક છે કે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર તરફથી હાજર થયા હતા અને હરીશ સાલ્વે રાજ્યપાલ વી કે સક્સેના વતી હાજર થયા હતા. ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે આપની અરજી પર દિલ્હીના ઉપરાજ્યપાલની સાથે કેન્દ્રને પણ નોટિસ પાઠવી હતી. દિલ્હી સરકારનું કહેવું છે કે વટહુકમના માધ્યમથી કેન્દ્ર તેમના હાથમાંથી ઉપરાજ્યપાલને ટ્રાન્સફર અને નિયુક્તિની સત્તા આપવા ઇચ્છુક છે. મહેતાએ કહ્યું – ચોમાસુ સત્ર દરમિયાન અમે આ મુદ્દે બિલ રજૂ કરવા જઈ રહ્યા છીએ એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર આ અધ્યાદેશને લઈને લોકસભામાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ચોમાસા સત્ર દરમિયાન લાવી શકાય છે. તેમણે કહ્યું કે સુનાવણી જુલાઇ સુધી મુલતવી રાખવી જોઈએ. જુલાઈથી મોનસુન સત્ર શરૂ થવાનું છે. મહેતાએ કહ્યું કે અધ્યાદેશનને એક અલગ અંદાજમાં રજૂ કરી શકાય છે.